ભવિષ્ય અંગેનું ખાસ શાસ્ત્ર છે. માનવીને પોતાના ભવિષ્યમાં હંમેશા કુતૂહલ રહ્યું છે એટલે જ્યોતિષીઓનો ધંધો સારો ચાલે છે. આવી કલ્પના માનવીને તેના ભવિષ્ય માટે સજ્જ થતાં અને આયોજન કરતા પણ શીખવે છે. એટલે આવી કલ્પનાઓ પછી ભૌતિક રીતે સાકાર પણ થાય છે. જૂલે વર્ન મહાન ભવિષ્યવેત્તા સાહસ કથાના લેખક હતા. વીસ મી સદીમાં પરગ્રહો પર ચડાઈ, રોકેટ, પાતાળ પ્રવેશ, સબમરીન, પૃથ્વીથી ચંદ્રનું અંતર તેમણે કહેલું તે સાચું પડેલું અને તે એ આપેલા અંદાઝ થી થોડા મીટર વધુ ઓછું છે. કોરોનાને લીધે અત્યારે જે પરિવર્તનો કામકાજ, ઓફિસ, વગેરે માં દેખાય છે તે કદાચ સ્થાયી થઈ જશે. ઇ-બેઠકો, વર્ચુઅલ મીટીંગ, ઘરથી કામ,અભ્યાસ વગેરે વધુ આગળ અને સારા થશે. પરિણામે, ઈન્ટરનેટ લોકોનો મૂળભૂત અધિકાર ગણાશે અને કલ્પના ના થઈ શકે તેટલો સારો સુધારો આવશે. બ્લોક ચેઈન ટેકનોલોજી સામાન્ય બની જશે. ખેતીમાં જમીનો બહુ રહેશે નહિ એટલે વર્ટીકલ ખેતી માટેના ટાવર ઊભા થશે અને માટી વિના ખેતી નો ખુબ પ્રચાર થશે. ઓર્ગેનિક ચીજો ફરજિયાત થતાં લોકોના આરોગ્યમાં સુધારો થશે. વિશ્વની સિત્તેર ટકાકરતા વધુ વસ્તી શહેરોમાં હશે એટલે જાહેર પરિવહનના શ્રેષ્ઠ સાધનો વિકાસ પામશે., બુલેટ ટ્રેન, પોડ કાર, ડ્રાઇવર વિનાની સ્કાય કાર, મોટા ડ્રોન દ્વારા પહાડી વિસ્તારોમાં માલસામાનની, માણસોની હેરફેર થશે. સોલાર સ્કાય ટેક્સી સામાન્ય બનશે. ડ્રોન દ્વારા ચીજોની હોમ ડિલિવરી સામાન્ય હશે. શરીરમાં એવી ચિપ્સ મુકાશે કે લોકો કોઈનું અપહરણ નહિ કરી શકે, કે કાર ચોરી પણ બંધ થઈ જશે. શરીરના અગત્યના અંગો જેવા કે કિડની, હ્રદય, લિવર, આંખો વગેરે મૃત્યુ પછી ફરજિયાત કાઢી લેવાય તેવુ પણ બનશે જેથી લાખો દર્દીઓને ફાયદો થાય. ચીનમાં અત્યારે કેદીઓને ફાંસી આપ્યા પહેલા અંગો કાઢી લેવાય છે તેવું સાંભળ્યું છે. સોલર, હાઇડ્રો, વિન્ડ પાવર, હાઇડ્રોજન ગેસ વગેરે ની બોલબાલા થતા પર્યાવરણમાં મોટો સુધારો થાય અને પેટ્રોલિયમ પેદાશોના જોર પર દુનિયાને પરેશાન કરતા અરબ દેશો પાછા હતા તેવા ઊંટ અને બેદુઈન કબીલા ભેગા થઈ જશે. પેટ્રોલ, ડીઝલ કોઈ લેશે નહિ અને જો પર્યાવરણ ની કાળજી નહિ લેવાય તો સ્ટીફન હોકિન્સ દ્વારા આગાહી હતી કે આગામી છસો વર્ષમાં પૃથ્વી રહેવાલાયક નહિ રહે તેમાં હવે ઉમેરો થયો છે કે આગામી ચાલીસ વર્ષમાં જ અવળી અસરો શરૂ થઈ જશે. આમ બને તો એશિયા, આફ્રિકાના દેશોનો સુવર્ણ યુગ શરૂ થાય, કેમકે સોલર માટે વર્ષના ત્રણસો દિવસ સૂર્ય પ્રકાશ સરેરાશ હોય છે, જેથી યુરોપ,અમેરિકા વગેરે નું સાપેક્ષ મહત્વ ઘટશે. અમેરિકા મહાસત્તાનું સ્થાન ધીમે ધીમે ગુમાવશે. ભારત સલામતી સમિતિમાં કાયમી સભ્ય બનશે. સુધીમાં ભારત મૂળના કોઈ અમેરિકાના પ્રેસિડેન્ટ બનવા